મને યાદ છે, ચૌદ વર્ષની ઉંમરે, પ્રથમ વખત તરવા માટે જ્યારે હું સમુદ્રમાં ગઇ અને આ તરણ દરમ્યાન, મોજા મને ઉપાડતા હતા અને મને નીચે ફેંકી રહ્યા છે, મેં મારામાં બાળક જોયું, જે સાહસો ભોગવે છે. અંગ્રેજી ચેનલને પાર કરતી વખતે, પહેલેથી જ દસ કલાક સુધી તર્યા પછી, જ્યારે હું એક જગ્યાએ દોઢ કલાક માટે અટકી ગઈ પ્રવાહને લીધે, જે તેના માતાપિતા અથવા તેના દેશને નિરાશ થવા દેવા માંગતી ન હતી. મેં મારામાં મજબૂત અને સમર્પિત રમતવીર જોયું. સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલ ખુલ્લા પાણીની મેરેથોનમાં, જ્યારે ભારત માટે હું મારો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીતી મારામાં મેં ગૌરવપૂર્ણ ભારતીય જોયું, ફરીથી ઇંગ્લિશ ચેનલને પાર કરતી વખતે, આ વખતે રિલે માં મારી માતા સાથે, એ જાણ્યા વગર કે અમે ઇતિહાસ રચી રહ્યા હતા, મેં મારામાં રક્ષણાત્મક પુત્રી જોઇ, જે ફક્ત તેના પોતાના સપના પરિપૂર્ણ કરવા માટે તે તેની મમ્મીને જોવા માંગતી હતી અને ચાર વર્ષ પહેલાં, જ્યારે હું એન્ટાર્કટિક મહાસાગરમાં ગયો, સ્વિમસ્યુટ સિવાય કંઇ પહેર્યું નથી. કેપ અને ગોગલ્સ, માત્ર કરવાની અવિચારી ભાવનાથી, મેં મારામાં એક ફાઇટર જોયું. જ્યારે હું તેમાં કૂદી પડ્યો શૂન્યથી એક ડિગ્રી સેલ્સિયસ પાણી, મને સમજાયું કે મેં તૈયારી કરી લીધી છે મારા શરીર અને મનને ઠંડી માટે, પરંતુ હું જે માટે તૈયાર ન હતો પાણીની ઘનતા હતી. દરેક સ્ટ્રોક લાગ્યું જેમ કે તેલ ખેંચીને અને પ્રથમ પાંચ મિનિટમાં મને તે લકવાગ્રસ્ત વિચાર હતો માત્ર છોડી દેવાનું. તે કેટલું સરસ હશે આ બધા વિશે માત્ર ભૂલી જવું, બોટ પર બેસો, ગરમ ફુવારો નીચે ઉભા અથવા મારી જાતને ગરમ ધાબળામાં લપેટી પરંતુ તે વિચાર સાથે, પણ વધુ મજબૂત બન્યું, અંદરથી વધુ ઇરાદાપૂર્વકનો અવાજ "તમે જાણો છો કે તમારી પાસે તે તમારામાં છે માત્ર એક વધુ સ્ટ્રોક લેવા. " તેથી મેં મારો હાથ ઉંચો કર્યો અને સ્ટ્રોક લીધો. "હવે એક વધુ. " તેથી મેં બીજો અને ત્રીજો સ્ટ્રોક લીધો. ચોથા દ્વારા, મેં એક પેન્ગ્વીન તરતો જોયો મારા પેટની નીચે તે મારી ડાબી બાજુએ આવ્યો અને મારી સાથે તરવાનું શરૂ કર્યું. "જુઓ,એક પેંગ્વિન તમને ખુશખુશાલ કરી રહ્યું છે," અંદર તે અવાજ સેઇડ. મેં હોડી પર મારા લોકો તરફ જોયું. તેઓના ચહેરા પર સમાન સ્મિત હતું કે હું ખાણ પર હતી. તે જ સ્મિત જે આપણા બધાને છે જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં અટવાઈ જઈએ છીએ અને આપણે આશાની કિરણ જોયે છે. અમે તેને નિયતિના સંકેત તરીકે લઈએ છીએ, અને આપણે આગળ વધારતા રહીએ છીએ. ફક્ત જેવું મેં કર્યું,